રાજ્યમાં અવાર-નવાર ઉપર સટ્ટો રમનાર વ્યક્તિને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતી રહે છે. શરુઆત થતાંની સાથે જ સુરતમાં બુકીઓ ગેલમાં આવી ગયા છે. બીજી બાજુ પોલીસ દ્વારા પણ બુકીઓને પકડી પાડવા માટે નેટવર્ક કામે લગાવ્યુ છે. પોલીસ કમિશન અજયકુમાર તોમરના આદેશથી સુરત શહેર વિસ્તારમાં દારૂ તેમજ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી છે. એવામાં હાલ આઈપીએલની સિઝન પણ શરૂ છે. જેમાં સટોડિયાઓએ ને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં દુબઈમાં રમાઈ ગયેલ મેચ પર સટ્ટોડિયો યાઓ દ્વારા હવે ઓનલાઈન સટ્ટો રમાતો હોવાનું સામે આવી રહ્યું છે. રાજસ્થાન રોયલ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન વેબસાઇટ પર બુકી પાસેથી આઇડી-પાસવર્ડ મેળવી સટ્ટો રમતા બે યુવકોને ઝડપી લઈ તેમની પાસેથી સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ દરમ્યાન ગઈકાલના રોજ પોલીસને બાતમી મળતા ખટોદરા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે બાતમીના આધારે ખટોદરા અલથાણના શીવ અર્પણ રેસીડન્સીના પાર્કિંગમાં રેડ કરી જય જગદીશ પટેલ અને રવિ ધીરૂભાઇ પટેલ ને ઝડપી પાડયા હતા. પોલીસે બંનેની અંગ જડતી કરતા જય પાસેથી રોકડા ત્રણ હજાર અને રવિ પાસેથી ચાર હજાર મળી આવ્યા હતા. આ રોકડ તેમણે ઓનલાઇન સટ્ટામાં જીતી હોવાની કબૂલાત કરતા પોલીસે રોકડ અને એપલ કંપનીનો મોબાઇલ ફોન મળી કુલ સત્યાવીસ હજારનો મુદ્દામાલ કબ્જે લઇ જય અને રવિની ધરપકડ કરી હતી. જયારે ચિરાગ અને બંટીને વોન્ટેડ જાહેર કર્યા હતા.